ખાન સાથેની તેણીની ફિલ્મોએ પણ બોલીવુડની નંબર યુનો હીરોઇન તરીકે તેણીની સ્થિતિ મજબૂત કરી. તેની સુંદરતા ઉપરાંત, કેટરિનાએ તેના પાવર-પેક્ડ એક્શન કૌશલ્યો અને સરળ ડાન્સ મૂવ્સ માટે પણ પ્રશંસા મેળવી છે. જ્યારે કેટરિના કૈફે ઇન્ડસ્ટ્રીમાં તેના વાજબી હિસ્સાનો સામનો કર્યો છે, ત્યારે વિકી કૌશલ તે વ્યક્તિ બન્યો જેણે મહિલાને તેના પગ પરથી હટાવી દીધી. પણ વાંચોસલમાન ખાન હાઉસગેલેક્સી બોલિવૂડનો ઉભરતો સ્ટાર, વિકી કૌશલ તેની દોષરહિત અભિનય અને પાત્રમાં પ્રવેશવાની તેની જન્મજાત ક્ષમતા માટે જાણીતો છે. તેણે ગેંગ્સ ઓફ વાસેપુર માટે સહાયક નિર્દેશક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તે નીરજ ઘેવાનની મસાન હતી જેણે ખરેખર વિકી કૌશલની સહેલી અભિનયને પ્રદર્શિત કરી હતી અને તેને ઇન્ડી મૂવીઝના ચાહકોમાં પ્રિય બનાવ્યો હતો. અંતે, વિકી કૌશલે ના ઉરી હુમલા પર આધારિત એક્શન ફિલ્મ અને જીવનચરિત્રાત્મક ઐતિહાસિક ડ્રામા સરદાર ઉધમ, ઉરીની રિલીઝ સાથે પોતાને એક મુખ્ય પ્રવાહના બોલિવૂડ સ્ટાર તરીકે સ્થાપિત કરી. જ્યારે કેટરીના કૈફ અને વિકી કૌશલ એક ઈન્ટરવ્યુમાં સાથે દેખાયા ત્યારે તેમની વચ્ચે તણખા ઉડી ગયા. જેમ જેમબંનેએ ટિન્સેલટાઉનને તેમની લવ સ્ટોરીથી લાલ રંગમાં રંગ્યું, ચાહકોને આશ્ચર્ય થવા લાગ્યું કે તેઓ તેમના સંબંધોને ક્યારે જાહેર કરશે, અને જુઓ અને જુઓ,દંપતીએ તેમના લગ્નની જાહેરાત વિદેશી સ્થાન, સિક્સ સેન્સ ફોર્ટ બરવારા ખાતે કરી હતી! તેમના યુનિયને અમને ખરેખર વિશ્વાસ અપાવ્યો કે 'હૅપીલી એવર આફ્ટર' અસ્તિત્વમાં છે! કેટરિના કૈફ અને વિકી કૌશલ સિક્સ સેન્સ ફોર્ટ બરવારા ખાતે લગ્નના બંધનમાં બંધાયા કેટરિના કૈફ અને વિકી કૌશલ હાઉસ મુંબઈજુહુમાં લગ્ન પછી તરત જ, કેટરિના કૈફ અને વિકી કૌશલ જુહુમાં તેમના અદભૂત માળામાં શિફ્ટ થઈ ગયા. તેમનું સમુદ્ર-મુખી લક્ઝરી એપાર્ટમેન્ટ ઐશ્વર્ય, પ્રેમ અને સૌંદર્યથી ભરપૂર છે, જે તેના માલિકોના વ્યક્તિત્વને ખરેખર પ્રતિબિંબિત કરે છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ તેમના પ્રશંસકોને સોશિયલ મીડિયા પર સતત અપડેટ્સ સાથે બોમ્બમારો કરી રહ્યા છે, જેનાથી તેઓ તેમના ભવ્ય એપાર્ટમેન્ટમાં એક ઝલક જોઈ શકે છે. સમકાલીન ફિક્સર, વૈભવી ફર્નિચર અને તેજસ્વી રંગોનું સુંદર મિશ્રણ, મુંબઈમાં તેમનું મનોહર ઘરબધું છે જેનાથી સપના બને છે! ચાલોસુખદ મિલકત પર નજીકથી નજર કરીએ. કેટરિના કૈફ અને વિકી કૌશલ તેમના ઘરે ક્રિસમસની ઉજવણી કરી રહ્યાં છે કેટરિના કૈફ અને વિકી કૌશલનું ઘરનું સરનામું વિકી કૌશલ અને કેટરિના કૈફ મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આવેલી ભવ્ય રાજમહેલ બિલ્ડિંગમાં રહે છે. માળની મિલકત જુહુના ચંદ્રબાઈ નગરના ભદ્ર વિસ્તારમાં આવેલી છે. કેટરિના અને વિકી રાજમહેલ બિલ્ડિંગના મા માળે રહે છે સ્રોતઃ આશિષ એસ્ટેટની વેબસાઈટઆ વિસ્તાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓનું ઘર